યમુનાની પવિત્ર નદી, જે હંમેશા શાંતિની સ્થિતિમાં રહેતી હતી, તેણે રાક્ષસી સ્વરૂપ ધારણ કર્યું હતું. તે તેના પાળા તોડીને સમુદ્રની જેમ ફૂલી ગયો. બરાબર મધ્યરાત્રિએ, દેવકીએ તેના આઠમા પુત્રને જન્મ આપ્યો. બાળકનો જન્મ થતાંની સાથે જ જેલની કોટડી તેજસ્વી પ્રકાશથી ભરાઈ ગઈ હતી. એવું લાગતું હતું કે હજારો સૂર્ય એક જ સમયે, તે અંધકારમય અને ધૂંધળા કોષમાં ઉતરી આવ્યા હતા. આ તેજસ્વી પ્રકાશથી વાસુદેવ જાગૃત થયા. તેણે જોયું કે દેવકી ગાઢ નિંદ્રામાં હતી અને તેની બાજુમાં એક નાનું બાળક સૂતેલું હતું. એટલામાં જ તેને દૈવી અવાજ સંભળાયો, વાસુદેવ, ઉઠો. આ તમારો નવજાત પુત્ર છે. તેને તમારા ગોકુળમાં લઈ જાઓ જ્યાં તમારા મિત્ર નંદ, ગોપા જાતિના વડા રહે છે, અને તેને તેના ઘરે છોડી દો. તે તેમના ઘરમાં સુરક્ષિત રહેશે. દૈવી અવાજ ચાલુ રાખ્યો, યશોદાએ પણ આજે રાત્રે દીકરીને જન્મ આપ્યો છે. નંદ અને યશોદા તેમની પુત્રીના જન્મથી અજાણ છે. તમારા પુત્રને તેમના ઘરે છોડી દો અને તેમની પુત્રીને આ સેલમાં પાછા લાવો. તેઓ આખી દુનિયા સાથે વિચારશે કે આ બાળક તેમનો પોતાનો પુત્ર છે. તેઓ તમારા બાળકને પોતાના પુત્રની જેમ સંભાળશે. આટલું કહીને તેજ પ્રકાશ નીકળી ગયો. જેલની કોટડીમાં ફરી એકવાર અંધારું છવાઈ ગયું. વાસુદેવે નાના છોકરાને ગળે લગાડ્યો. તેણે બાળકને એક ટોપલીમાં રાખ્યું અને કોઈની નજરમાં પડ્યા વિના જેલમાંથી બહાર નીકળવાના રસ્તાઓ વિશે વિચારવાનું શરૂ કર્યું. બાળકને ટોપલીમાં મૂકતાની સાથે જ તેના સેલનો લોખંડનો દરવાજો જાતે જ ખુલી ગયો. વાસુદેવ બહાર નીકળ્યા અને આશ્ચર્યચકિત થઈ ગયા કે બધા રક્ષકો જાણે કોઈ જાદુઈ મંત્ર હેઠળ સૂઈ ગયા રહ્યા છે. માથે ટોપલી લઈને વાસુદેવ નજરે પડ્યા વિના જેલમાંથી બહાર આવ્યા. તે યમુનાના કિનારે આવ્યો અને તેણે જોયું કે ભારે વરસાદને કારણે નદી એટલી બધી વધી ગઈ છે કે તેને મહાસાગર જેવું લાગ્યું. બીજું કોઈ સાધન દેખાતું ન હોવાથી તેણે પગપાળા નદી પાર કરવાનું શરૂ કર્યું. તેને ચિંતા હતી કે તે અને તેનું બાળક બંને નદીના જોરદાર પ્રવાહમાં વહી જશે. કોષ છોડતા પહેલા તેણે બાળકને વરસાદથી બચાવવા માટે કપડાના ટુકડાથી ટોપલી ઢાંકી દીધી હતી. એવું લાગતું હતું કે માત્ર કાપડનો ટુકડો મુશળધાર વરસાદ સાથે કોઈ મેળ ખાતો ન હતો જે ઘટવાના કોઈ ચિહ્નો બતાવતો ન હતો. ત્યારે જ, વાસુદેવે જોયું કે એક વિશાળ, અનેક માથાવાળો સાપ તેમની તરફ આગળ વધી રહ્યો છે. ગભરાઈ જવા છતાં વાંછું વાસુદેવ અટક્યા નહિ. સાપે વાસુદેવ અને બાળકને તેના હૂડથી ઢાંકી દીધા, વરસાદથી અસરકારક રીતે રક્ષણ કર્યું. આ સાપ આદિ-અનંત શેષ અથવા ફક્ત શેષ નાગ હતો.. વાસુદેવ નિરાંતે નદી ઓળંગીને ગોકુળ પહોંચ્યા. તે સીધો તેના મિત્ર નંદરાજના ઘરે ગયો. દરવાજા ખુલ્લા પડ્યા અને વાસુદેવ જીવતા ઓરડામાં પ્રવેશ્યા. તેણે નંદરાજ અને તેની પત્ની યશોદાને ગાઢ નિંદ્રામાં જોયા. યશોદાની બાજુમાં એક શિશુ જાગતું હતું, જાણે તેની રાહ જોઈ રહ્યું હતું. વાસુદેવે તેના નાના છોકરાને યશોદાની બાજુમાં બેસાડી, તેને અલવિદા ચુંબન કર્યું અને નાની છોકરીને પસંદ કરી.